જેમાં તેમાં મૂકવામાં આવેલી વસ્તુઓ પર કેન્દ્રિત કરવાની શક્તિ હોય છે. પિરામિડ્સની શક્તિની સંભાવના અનંત છે. તેનો ઉપયોગ યુવાનોને બચાવવા, સારી તંદુરસ્તી સુનિશ્ચિત કરવા અથવા તમારા ઘરને પિરામિડની આકારમાં બનાવી શકે છે અને તેથી તમારા જીવનકાળમાં વધારો કરી શકે છે. મારા ઇતિહાસથી અજાણ મારા હેડમાસ્ટર, હંમેશાં મારી પ્રશંસા કરતા કહેતા, "ડોરિન શ્રેષ્ઠ છે અને આ શાળામાં અત્યંત સખત શિક્ષક છે. " અન્ય શિક્ષકોની સાથે આવું નહોતું. તેઓએ મને કામ કરવાનું મૂર્ખ માન્યું. એક શાળા જાણે તે મારી પોતાની જ હોય! વિચારો કે હું મેળવી શકું? પણ મને વખાણ ગમ્યા. તે હાજર જેવા, ઇનામો જીત્યા જેવું હતું. હું હંમેશાં મને સામાન્ય અને ધાર્યું હોય તેવું કરવા બદલ પ્રશંસા કરું છું, અને જેની પહેલાં હું ક્યારેય પ્રશંસા નહોતી કરતો. એણે મારી અંદરની શક્તિઓને બળતણ કર્યું કે પચીસ વર્ષનું જીવનકાળ હજી થાક્યું નથી. બાદશાહ ગયા પછી, લોકોની ભીડ મને જોવા માટે આવી. હું તે ટાપુની નવીનતા હતી કારણ કે આ લોકોએ પહેલાં ક્યારેય મારા કદના કોઈને જોયું ન હતું. કેટલાક નાના લોકોએ મારા પર તીર રાખ્યા હતા. એક તીર લગભગ મારી આંખ માં ગોળી. મને આનંદ થાય તેમ આ લોકોને સજા કરવા માટે મને સોંપવામાં આવ્યા હતા. બાદશાહના આદેશથી, મને દરરોજ છ ગાય અને ચાલીસ ઘેટાં દૂધ આપવાના હતા. મારા કપડાં ત્રણસો ટેલર દ્વારા બનાવવામાં આવ્યાં હતાં અને મારી સંભાળ રાખવા માટે મારી પાસે છસો એટેન્ડન્ટ્સ હતાં. મને છ શિક્ષકો દ્વારા સ્થાનિક ભાષા શીખવવાની હતી. અમે ક્યારેક વિચારીએ છીએ કે કોઈ કામ ન કરવાથી તે ખૂબ જ સરસ રહેશે. આપણે કેવી રીતે શ્રીમંત લોકોની ઇર્ષ્યા કરીએ છીએ કે જેમણે તેમના જીવનનિર્વાહ માટે કામ ન કરવું હોય પરંતુ તે વર્ષભર રાજી કરે તે જ કરી શકે છે. છતાં જ્યારે આપણને આવું લાગે છે ત્યારે આપણે ભૂલ કરીએ છીએ. કેટલીક વાર શ્રીમંત લોકો જેટલા અમને લાગે છે તેટલા ખુશ નથી, કારણ કે તેઓ કંઇ કરવાને લીધે કંટાળી ગયા છે. આપણા જીવનનિર્વાહ માટે નિયમિતપણે કામ કરવાનું હોય ત્યારે, આપણામાંના મોટાભાગના લોકો ખુશ હોય છે, ખાસ કરીને જો કામ આપણને કરવાનું ગમતું હોય. કામ આપણા માટે સૌ પ્રથમ કરે છે તે છે અમને ખુશીઓ આપવી. તે શેરીઓમાં એક ભિખારી જેવો છે જે બીજાના વાંદરાને કમાવવા માટે મહેનત કરે છે. આવા લોકો સ્વતંત્ર રીતે જીવતા નથી અને તેમને શરમ અનુભવવા જોઈએ. પરંતુ પ્રામાણિક કાર્યકર જે ઉપયોગી પરિશ્રમ દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે તે માથું પકડી શકે છે અને પોતાનો આદર કરી શકે છે. છેલ્લે નિયમિત કાર્ય પાત્ર બનાવે છે. તે આપણને સમયની અવધિ, સાવચેતી, સંપૂર્ણતા અને કાર્યમાં વિશ્વાસ જેવી સારી ટેવો શીખવે છે. તે માણસ છે જે કામ કરે છે, મૂર્ખ માણસ નથી, જે નિયમ તરીકે શ્રેષ્ઠ પાત્રનો વિકાસ કરે છે. વૃત્તિ દ્વારા, મોટાભાગના માતાપિતા તેમના બાળકોને પ્રેમ અને સંભાળ રાખે છે. છતાં, ઘણી વાર, તેમની અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ બાળકો પર ખૂબ દબાણ લાવે છે. જ્યારે બાળકો।